ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મને લઈને ચાહકોની ઉત્તેજના સોશિયલ મીડિયા પર સ્પષ્ટ જોઈ શકાય છે. જો કે, શાહરૂખ ખાન સિલ્વર સ્ક્રીન પર પાછો ફર્યો હોવા છતાં, ટીમ ઓછુ પ્રમોશન કરી રહી છે. તાજેતરમાં અમને જાણવા મળ્યું કે શાહરૂખ ખાને જ મીડિયાની વાતચીત અને ઇન્ટરવ્યુમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો હતો. આ સિવાય સુપરસ્ટારે રિયાલિટી શોના પ્રમોશનને પણ ઠુકરાવી દીધું છે. આ અંગે નજીકના એક મીડિયા સૂત્રનું કહેવું છે કે અહેવાલ મુજબ, શાહરૂખ ખાન હાલમાં પ્રમોશન વ્યૂહરચનાથી કમ્ફર્ટેબલ નથી. તેનું કારણ છે તેના જીવનમાં થયેલા વિવાદો. શાહરૂખના નિર્ણયને સ્વીકારીને દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમે પણ પ્રમોશનલ ઈવેન્ટ્સથી દૂર રહ્યા છે. તેમની ફિલ્મના પ્રચાર માટે રિયાલિટી શોમાં દેખાતા કલાકારોથી વિપરીત, ટીમે પણ આ પ્રવૃત્તિથી દૂર રહેવાનું પસંદ કર્યું છે. એક અહેવાલ અનુસાર, એક નજીકના સૂત્રએ ખુલાસો કર્યો છે કે શાહરૂખ ખાન પણ તેની એક્શન ફિલ્મના પ્રચાર માટે સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવેલ બિગ બોસ સોડનો ભાગ નહીં હોય. વધુમાં ઉમેર્યું હતું કે સુપરસ્ટાર તેના પ્રેક્ષકો સુધી સીધો જ પહોંચવાનું પસંદ કરશે અને તેણે કપિલ શર્મા શો માટે પ્રમોશનલ ઑફરો પણ નકારી કાઢી છે. સૂત્રએ વધુમાં કહ્યું કે એ ગતિ પકડી છે આ વખતે મીડિયાથી દૂર રહેતો શાહરૂખ. કોઈપણ પરંપરાગત મીડિયા પ્રમોશન વિના ફિલ્મની રિલીઝને આગળ વધી રહ્યો છે. મીડિયાની વાતચીત અને ઇન્ટરવ્યુ ટાળવા છતાં ફિલ્મના સ્ટાર્સે પહેલાથી જ ફિલ્મને બ્લોકબસ્ટર ગણાવી છે. જેમ જેમ ફિલ્મની રિલીઝ ડેટ નજીક આવી રહી છે તેમ તેમ ફિલ્મની ઉત્તેજના દિવસેને દિવસે વધી રહી છે. તમને જણાવી દઈએ કે, શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમની ફિલ્મ પચીસ જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. આટલું જ નહીં આ ફિલ્મનું બમ્પર બુકિંગ તેની રિલીઝ પહેલા જ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદે ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં શાહરૂખ સિક્રેટ એજન્ટની ભૂમિકામાં છે, જ્યારે દીપિકા એક સૈનિકની ભૂમિકામાં છે ,જ્યારે જ્હોન ફિલ્મમાં આતંકવાદી માસ્ટરમાઇન્ડની નકારાત્મક ભૂમિકા ભજવે છે.